અવકાશમાં લગભગ લાખ જેટલા આવા ભંગારના ટુકડાઓ ઘૂમી રહ્યા છે. કોઈ વખત મોટો અકસ્માત ન થઇ જાય તો સારું! અવકાશયાત્રીઓએ ખાસ બનાવટનો અવકાશ સુટ પહેરવો પડે. એમણે સતત ખાસ પ્રકારની હેલ્મેટ પહેરી રાખવી પડે. આ હેલ્મેટમાં વાઈસર હોય છે।. આ વાઈસર થીજી ન જાય એ માટે હેલ્મેટમાં સતત ઓક્સીજન ફરતો રાખવો પડે છે. અવકાશયાત્રીના અવકાશ સુટમાં એક કરતાં વધારે આવરણ હોય છે. એના વચ્ચેના આવરણને ફુગ્ગાની જેમ ફુલાવીને અવકાશયાત્રીના શરીર સાથે દબાણ આપવું પડે છે. જો આવું દબાણ ન આપે તો અવકાશયાત્રીનું શરીર ઉકળી જાય. અવકાશયાત્રી જે હાથ મોજાં પહેરે છે એમાં ખાસ પ્રકારના સીલીકોન રબર વપરાય છે જેથી તેઓ આંગળી વડે કરાતા સ્પર્શને અનુભવી શકે. ખાસ બનાવટના આવા અવકાશી સુટ ખુબ જ મોંઘા હોય છે. કરોડથી પણ વધારે કિંમતનો એક સુટ થાય! આ સુટ માં ઈલેક્ટ્રોનિક સર્કીટ જ વધારે હોય છે. અવકાશયાત્રા તો કોઈ પણ દેશને ખુબ જ મોંઘી પડે. પૃથ્વી પર રહીને અવકાશનો અભ્યાસ કરવા ખાસ પ્રકારના ટેલીસ્કોપ વપરાય છે. હબલ ટેલીસ્કોપ ઘણું જાણીતું છે. એના થકી ઘણો અભ્યાસ થયો છે. હવે તો મેક્સિકોના રણમાં મોટા મોટા અરીસા વાળા ટેલીસ્કોપ મુકાયા છે. ઊંચા પ્રદેશોમાં પણ ટેલીસ્કોપ ગોઠવીને અવકાશનો અભ્યાસ થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકો અવકાશ મથક પર પણ ટેલીસ્કોપ મુકીને અવકાશના દુરના પ્રદેશનો અભ્યાસ કરવાનું પણ વિચારી રહ્યા છે. જુલ્લુ મોનુને કહે કે હવે તો ખાનગી સંસ્થાઓ મારફતે અઢળક કિંમત લઈને કોઈને પણ અવકાશમાં લઇ જવાનો વ્યવસાય જ શરુ થયો છે. આના માટે આકરી તાલીમ તો લેવી જ પડે. મોનુએ પૂછ્યું કે ભારતમાંથી કોઈ અવકાશમાં ગયું છે? જુલ્લુ કહે કે રાકેશ શર્મા નામના ભારતીય હવાઈદળના ઈજનેર રશિયાના યાનમાં અવકાશમાં ગયા હતા. તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે એમણે અવકાશમાંથી વાત પણ કરી હતી. જયારે ઇન્દિરા ગાંધીએ એમને પૂછ્યું કે "ત્યાંથી ભારત દેશ કેવો દેખાય છે? " ત્યારે રાકેશ શર્માએ ત્વરિત જવાબ આપ્યો કે, "સારે જહાં સે અચ્છા... ". આપણું પ્રિય ગીત છે ને? "સારે જહાં સે અચ્છા હિંદુસ્તા હમારા... ". એમનો આવો ત્વરિત અને શ્રેષ્ઠ જવાબ સાંભળીને ઈન્દિરાજી એકદમ જ મલકાઈ ગયાં હતાં. ઘરે પાછા ફરતાં જુલ્લુએ મોનુને થોડે ઉંચે જઈને બતાવ્યું કે પૃથ્વી એકદમ જ ગોળ નથી પરંતુ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ સહેજ ચપટી છે એટલે નારંગી જેવા આકારની છે! મોનુ અવકાશ યાત્રાની આવી અજનબી વાતો સાંભળીને ભારત દેશના એક મહાન અવકાશ યાત્રી બનવાનું સપનું જોતાં સુઈ ગયો. ઈલેક્ટ્રોનિક દુનિયા મોનુ નામનો એક છોકરો સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રહે છે. એની પાસે જુલ્લુ નામનું એક કૂતરું છે. મોનુ જુલ્લુ સાથે એ એક માણસ હોય એવી રીતે જ વાતચીત કરતો હોય છે. મોનુને વાંચનનો બહુ જ શોખ છે. એ શાળાના અને ગામના પુસ્તકાલયમાંથી ઘણાં બધાં પુસ્તકો લાવીને વાંચતો રહે છે. ઘણું બધું વાંચ્યા પછી એ જે કાંઈ વાંચ્યું હોય એનાં સપનાં જોવા લાગે છે. એક દિવસ દુનિયાની વિગતો વાંચતાં વાંચતાં એ ઊંઘી ગયો અને એને સપનું આવ્યું કે એનું જુલ્લુ ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીયર બની ગયું છે! જુલ્લુએ મોનુને ઇલેક્ટ્રોનીક્સ જગતનો પરિચય કરાવ્યો. જુલ્લુએ મોનુને પૂછ્યું: "તું ઈલેક્ટ્રોનિકસમાં શું જાણે છે? " મોનુ કહે કે, "મેં ટેલીવિઝન, મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, વિડીયો ગેમ્સ, રોબોટ વિષે સાંભળ્યું છે.